શુદ્ધ અને ઓછા છિદ્રો સાથે સારી રીતે હાઇડ્રેટેડ મોર્ટાર રચનાને વધુ ટકાઉ બનાવે છે. સારાંશભૂમિ પૂજન મુહૂર્ત તારીખો અમે આશા રાખીએ છીએ કે ભૂમિ પૂજન મુહૂર્ત તારીખો વિશેનીવિગતવાર માર્ગદર્શિકા તમને ગૃહ નિર્માણ પૂજા કરવા માટે શુભ મુહૂર્ત શોધવામાં મદદ કરશે. અમારા માર્ગદર્શિકાને અનુસરો અને સમૃદ્ધિ અને સુખ લાવવા માટે તૈયાર થાઓ. હિંદુ કેલેન્ડર મુજબ, ભૂમિપૂજન માટે કોઈ શુભ મુહૂર્ત અથવા તારીખોહોય તેવી તારીખો માટેતમે કોઈ પાદરીની સલાહ લઈ શકો છો. ઉપરાંત, તમારી કુંડળી અથવા જન્માક્ષર મુજબ, કોઈ પૂજારી અથવા જ્યોતિષ કોઈ મુહૂર્ત તારીખ સૂચવી શકે છે. ગૃહ પ્રવેશ અને વાસ્તુ વિશે વધુ ગૃહ પ્રવેશ મુહૂર્ત ગૃહ પ્રવેશ આમંત્રણ કાર્ડ ગૃહ પ્રવેશ પૂજા ટિપ્સ ગૃહપ્રવેશ મુહૂર્તમ પૈસા માટે વાસ્તુ ટિપ્સ વાસ્તુ મુજબ રસોડામાં રંગ પૂજા રૂમ માટે વાસ્તુ વેસ્ટ ફેસિંગ હાઉસ વાસ્તુ પ્લાન પૂર્વ તરફની વાસ્તુ યોજના ભૂમિ પૂજન મુહૂર્તના ગેરફાયદા+.. ઓણમ ઉજવણી મહત્વ, ઓણમ પૂકલમ અને ઘર માટે અન્ય સજાવટના વિચારો ઘર માટે ઓણમ સજાવટના વિચારોના અમારા રસપ્રદ સંગ્રહ સાથે ઓણમની ઉજવણીના મૂડને ઉત્સાહિત કરો. ઓણમ, કેરળનો આનંદી વાર્ષિક લણણીનો તહેવાર, અહીં આવી ગયો છે, અને તમારા ઘરને ઉત્સવની સંપૂર્ણ આભામાં તરબોળ કરવાનોસમય છે. ઓનમની ઉજવણી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી થાય છેઆ વર્ષે, તે ઓગસ્ટથી શરૂ થાય છે અને ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે. હકીકતને નકારી શકાય નહીં કે પરંપરાઓ, ધાર્મિક વિધિઓ, રંગો, સરંજામ, સ્વાદિષ્ટ વાનગીઓ અને હ્રદયસ્પર્શી ઉજવણી તહેવારને જીવંત બનાવે છે. વિશ્વભરના કેરળવાસીઓતહેવાર ખૂબધામધૂમથી ઉજવે છે. આજે, અમે ઘર માટે રસપ્રદ ઓણમ સજાવટના વિચારો સાથે ઓણમના મહત્વ અને ઇતિહાસની ચર્ચા કરીએ છીએ. તોશુભ અવસર શું ધરાવે છે તે જાણવા માટે અમારી સાથે જોડાઓ અને ઓણમની ઉજવણીના ઉત્સાહમાં આનંદ માણો. ઓણમનું મહત્વ મલયાલમ કેલેન્ડરમાં ઓણમનું ખૂબ મહત્વ છે કારણ કે તે પુષ્કળ પાકને દર્શાવે છે અને નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. તહેવાર રાજા મહાબલી અથવા માવેલીના કેરળમાં પાછા ફરવાની ઉજવણી કરે છે કારણ કે રાક્ષસ રાજાએ એક સમયે રાજ્ય પર શાસન કર્યું હતું. તહેવારના દસ દિવસો કહેવામાં આવે છેઅથમ ચિથિરા ચોળી વિશાકમ અનીઝમ થ્રીકેટા મૂળમ ગરીબડમ ઉથરાડોમ તિરુઓનમ એવું કહેવાય છે કેવર્ષનો એવો સમય છે જ્યારે કેરળના લોકો સારો પાક ભેગો કરે છે. સમય દરમિયાન વિવિધ સાંસ્કૃતિક સંગઠનો અને જૂથો એકસાથે આવે છે અને સાંસ્કૃતિક પ્રદર્શન, રમતો અને સમુદાયની મિજબાનીઓનું આયોજન કરે છે. રાજા મહાબલિની ભાવનાને આવકારવા માટે લોકો તેમના ઘરોને સાફ કરે છે અને શણગારે છે, જે રાજ્યના દરેક ઘરની મુલાકાત લે છે અને રહેવાસીઓની સુખાકારી તપાસે છે. એક સુંદર ઓણમ પૂકલમ